બાબા રામદેવે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર નશો અને ડ્રગ્સ લેવાનો આરોપ લગાવ્યો હતો. આર્ય વીર મહા સંમેલનમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી યોગી મુરાદાબાદ પહોંચ્યા હતા. તેમના પહેલા આ જ જગ્યાએ બાબા રામદેવનું કોન્ફરન્સ અને કાર્યક્રમ યોજાયો હતો. શનિવારે મુરાદાબાદમાં તેમણે મંચ પરથી લોકોને નશા મુક્તિ વિશે જાગૃત કરતા લોકોને નશા મુક્ત સમય બનાવવાનું આહ્વાન કર્યું હતું. સાથે બાબા રામદેવે શાહરૂખ ખાન અને સલમાનનું ઉદાહરણ આપીને ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર નશાનો અને ડ્રગ્સનો આરોપ લગાવ્યો હતો. શાહરૂખ ખાનના પુત્ર આર્યન પર ટોણો માર્યો. બાબા રામદેવે પણ મંચ પરથી દરેકને અપીલ કરી છે. તેમણે કહ્યું કે આપણા બધાની ફરજ છે કે આપણામાંથી કોઈએ બીડી, સિગારેટ કે દારૂ ન પીવો જોઈએ. તેમણે કહ્યું કે આમાં આર્ય સમાજ દ્વારા જે કાર્ય કરવામાં આવે છે તેની સૌથી વધુ જરૂર છે. જો આખું રાષ્ટ્ર નશામુક્ત બને તો સમજવું કે મહર્ષિ દયાનંદજીનું સપનું પૂરું થઈ ગયું છે, તે કાયદાથી નહીં થાય, આ માટે તમારે જાતે જ કરવું પડશે. સલમાન-આમિર માટે જાણો શું કહ્યું? બાબા રામદેવે બોલિવૂડ અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર પણ ડ્રગ્સને લઈને ઉગ્ર પ્રહારો કર્યા હતા. તે કહે છે કે ભૂતકાળમાં તમે શાહરૂખ ખાનનો છોકરો જેલમાં હતા ત્યારે ડ્રગ્સનું સેવન કર્યું હતું. સલમાન ખાન ડ્રગ્સ લે છે અને આમિર વિષે ખબર નહી. ન જાણે કેટલા મોટા લોકો ફિલ્મ સ્ટાર કહેવાય છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અંદર ચારેબાજુ ડ્રગ્સ છે. બોલિવૂડના ડ્રગ પોલિટિક્સમાં ડ્રગ્સ, ચૂંટણી દરમિયાન દારૂનું વિતરણ થાય છે. આપણે સંકલ્પ લેવો જોઈએ કે ઋષિમુનિઓની આ ભૂમિને નશામુક્ત બનાવવી છે. અમે વ્યસનમુક્તિ માટે આંદોલન પણ ચલાવીશું. બોલિવૂડનું ડ્રગ્સ સાથે કનેક્શન હોવાની ઘણી વાતો સામે આવી છે. એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ડ્રગ કનેક્શનની ચર્ચા શરૂ થઈ હતી. ત્યારથી બોલીવુડ અને તેના સ્ટાર્સ ના નિશાના પર ચાલી રહ્યા છે. ડ્રગ્સ અને બોલિવૂડને લઈને પણ રાજકારણ ખૂબ જ ગરમ છે. ગયા વર્ષે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની એન સીબીએ ડ્રગ્સના કેસમાં ધરપકડ કરી હતી. જોકે, આર્યન વિરુદ્ધ કોઈ પુરાવા ન મળવાના કારણે આ કેસમાં તેને નિર્દોષ પણ છોડી દેવામાં આવ્યો હતો.